આમ તો સૌરવ ગાંગુલીએ પોતાની જિંદગી સાથે જોડાયેલા અનેક ખુલાસા પોતાની પુસ્તક એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ માં કર્યા છે. તેમણે પોતાની પુસ્તકમાં અનેક મજેદાર કિસ્સાઓનું પણ વર્ણન કર્યું છે. ભારતવર્ષ અને ખાસકરીને બંગાલમાં દુર્ગા પુજાનું પર્વ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટનને પણ આ પર્વ ખુબ જ પસંદ છે. પરંતુ પ્રખ્યાત હોવાના કારણે સામાન્ય લોકોની જેમ ઉત્સવમાં ભાગ લેવા ન જઈ શકે. આ જ કારણ હતું કે દુર્ગા પૂજાને બીજા લોકોની જેમ ઉજવવા માટે સૌરવ ગાંગુલીએ એકવાર સરદારનું રૂપ ધારણ કર્યું હતું. જોકે, પોલીસે તેમને ઓળખી લીધા હતા. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે મને દુર્ગા પૂજામાં સામેલ થવું ખુબ જ પસંદ છે. મને દેવીમાના વિસર્જન સમયે નીકળતા ઝુલૂસમાં સામેલ થવું પસંદ છે. બંગાળમાં આને વિશર્જોન કહેવામાં આવે છે. આ સમયે દેવી માતાને ગંગામાં વિષર્જન કરવામાં આવે છે. આ દ્રશ્ય ખુબ જ શાનદાર અને પ્રભાવશાળી હોય છે. વિસર્જન સમયે નદી પાસે લોકોની ખુબ જ ભીડ હોય છે. એટલા માટે એકવાર આ ઝુલૂસમાં સામેલ થવા માટે ગયા હતા. ત્યારે મે હરભજન સિંહના લોકો જેવું જ રૂપ ધારણ કર્યું હતું. હું એ દરમિયાન ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો. પત્ની ડોનાએ કર્યો હતો પતિ સૌરવનો સરદાર જેવો મેકઅપ સૌરવ ગાંગુલીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મારા સરદારજી વાળો મેકઅપ મારી પત્ની ડોનાએ કર્યો હતો. મારા બધા ભાઈ બહેન મારી મજાક ઉડાડતા હતા અને કહેતા હતા કે મને ઓળખી લેવામાં આવશે. બધાએ મારી ખુબ જ મજાક ઉડાવી હતી. પરંતુ મેં પડકાર સ્વીકારી લીધો અને શિખનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુર્ગા વિસર્જનના ઝુલૂસમાં સામેલ થયો હતો. જોકે તેઓ સાચા સાબિત થયા હતા. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે મેને પોલીસે ટ્રકમાં જવા માટે મંજૂરી આપી નહીં. મને બેટી સના સાથે કારમાં જ જવું પડ્યું હતું. જેવી જ કાર બાબૂઘાટ પાસે પહોંચી તો પોલીસ ઇન્સ્પેક્ટરે કારની બારીની અંદર મને ધ્યાનથી જોયું અને હસ્યા તેમણે મને ઓળખી લીધા હતા. મને શરમ અનુભવાઈ પરંતુ આ સાથે જ મે તેમને કહ્યું કે આ વાત કોઈને ન કહે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે મારો નિર્ણય રંગ લાવ્યો હતો. મેં દુર્ગા વિસર્જન જોયું હતું.